આ ફોર્મ એ જણાવવા માટે ભરવામાં આવે છે કે આખા નાણાકીય વર્ષમાં વ્યક્તિની આવક એટલી નથી કે જેના પર ટેક્સ લગાવી શકાય. આ ફોર્મ આવી આવક પર થી બચાવામાં મદદ કરે છે. સિનિયર સિટીઝન માટે આનો અર્થ શું છે? ફોર્મ એવું ડિક્લેર કરે છે કે નાણાકીય વર્ષ માટે સિનિયર સિટીઝનની કુલ આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી છે. એ નોંધવું અગત્યનું છે કે વરિષ્ઠ નાગરિકો બિન-વરિષ્ઠ નાગરિકો કરતાં વધુ મુક્તિ મર્યાદા માટે પાત્ર છે. નાણાકીય વર્ષ ત્રેવીસ માટે, સિનિયર સિટીઝન માટે મૂળભૂત મુક્તિ મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે, જ્યારે નોન-સિનિયર સિટીઝન માટે તે બે પોઈંટ પાંચ લાખ રૂપિયા છે. આનો અર્થ એ છે કે વરિષ્ઠ નાગરિકો ટેક્સ ચૂકવ્યા વિના વધુ કમાણી કરી શકે છે. બિન-કરપાત્ર આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો શું કરી શકે છે? સિનિયર સિટીઝન કે જેમની પાસે કોઈ કરપાત્ર આવક નથી તેઓ હજુ પણ તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે આ પગલાં લઈ શકે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જો વરિષ્ઠ નાગરિકોની કોઈ કરપાત્ર આવક ન હોય તો પણ, જો તેમની કુલ આવક, બચત બેંક ખાતાઓ પરના વ્યાજમાંથી આવક અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી મુક્તિવાળી આવક બે પોઈંટ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો તેઓએ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઈએ. કરમુક્ત રોકાણના સ્ત્રોતમાં ઇન્વેસ્ટમંન્ટ કરવું, સિનિયર સિટીઝન કરમુક્ત બોન્ડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. જેથી તેના પર મળેલી આવક સંપૂર્ણપણે કરમુક્ત હશે. તેઓ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરવાનું પણ વિચારી શકે છે, જે વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. મેડિકલ ખર્ચ પર કરલાભનો દાવો કરો. વરિષ્ઠ નાગરિકો પોતાને અથવા તેમના જીવનસાથી, બાળકો અથવા આશ્રિત માતાપિતા માટે કરવામાં આવેલા મેડિકલ ખર્ચ પર કર લાભોનો દાવો કરી શકે છે. ઉપરાંત, તેઓ ચૂકવવામાં આવેલ તબીબી વીમા પ્રીમિયમ માટે કલમ એંસી હેઠળ કપાતનો દાવો કરી શકે છે. હોમ લોનના બે લાખથી વધુના વ્યાજ પર કર કપાતનો દાવો ક્યારે કરી શકાય, ફોર્મ કેવી રીતે ભરવું? સૌપ્રથમ સિનિયર સિટીઝન બેંકમાંથી અથવા ઓનલાઈન ફોર્મ પંદર ડાઉનલોડ કરો. તેમાં અરજદારનું નામ, કાર્ડની વિગતો, સરનામું, જન્મ તારીખ અને આવક વિશેની માહિતી દાખલ કરો. જો સિનિયરસિટીઝનનું મૂલ્યાંકન ઉલ્લેખિત મૂલ્યાંકન વર્ષ પહેલા કોઈપણ વર્ષમાં કરવામાં આવ્યું હોય તો 'હા' દાખલ કરો. કુલ આવક વિશે માહિતી આપો કે જેના માટે અરજદાર તેની ઘોષણા કરવા માંગે છે. વર્તમાન વર્ષની અંદાજિત કુલ આવક અને પાછલા વર્ષની અંદાજિત આવકનો ઉલ્લેખ કરો. ત્યારબાદ અરજદારના શેરની સંખ્યા, પોલિસીની વિગતો, માહિતી અને તેના કર્મચારી કોડ વગેરેની વિગતો દાખલ કરો. ફોર્મનો બીજા ભાગ ખાલી છોડી દો અને તેને સબમિટ કરો.